શરીરમાં ફક્ત આંખની કીકી જ એક એવી છે કે એને લોહી પહોંચતું નથી. માણસ બોલે છે ત્યારે શરીરના જુદાજુદા બોતેર મસલ્સ કામ કરે છે. અમદાવાદને 'માંચેસ્ટર ઑફ ઈંડિયા'નું બિરુદ મળ્યું હતું. એક સિગરેટ પીવાથી માનવીનું સરેરાશ આયુષ્ય સાડા પાંચ મિનિટ જેટલું ઘટી જાય છે. રશિયાએ 'સ્પુટનિક' નામનો કૃમિત્રઉપગ્રહ પ્રથમવાર અવકાશમાં મોકલ્યો હતો. ઍરોપ્લેનની શોધ ઓગણીસ સો ત્રણ માં થઈ હતી. સ્વર્ગીય. ચરણસિંહની સમાધિ 'કિસાન ઘાટ' ના નામે જાણીતી છે. પંડિત કાબરાનું નામ 'ગિટાર' સાથે સંકળાયેલુ છે. 'બરફ્ની હૉકી' કૅનેડાની રાષ્ટ્રીય રમત છે. ગુરુને બાર ઉપગ્રહ છે. સ્પેન દેશમાં કાપડ પર સમાચાર પત્ર બહાર પાડવામાં આવે છે. ભારતનું સૌથી જૂનું ચર્ચ પલપુર-કેરાલામાં આવેલું છે. ઈંદિરા ગાંધી અને ઝુલ્ફીકાર ભુત્તો વચ્ચે સિમલામાં શંતિ કરાર થયા હતા. 'ઈંડિયન નેશનલ કૉંગ્રેસ' સૌથી જૂની રાજકીય પાર્ટી છે. 'વ્હીલર' ચેઈન બુકશોપ બસો ત્રેપન રેલ્વે સ્ટેશન પર જોવા મળે છે. ભારતમાં પ્રથમ એસ. ટી. ડી. ની સેવા લખનૌ-કાનપુર વચ્ચે શરુ થઈ હતી. પાંચ . જર્મનીના પ્રથમ ઉપગ્રહનું નામ અઝુર હતું. રાષ્ટ્રીય શાયરનું બિરુદ 'ઝવેરચંદ મેઘાણી'ને આપવામાં આવ્યું હતું. કોકાકોલા સૌપ્રથમ બનાવાયેલું ત્યારે એનો રંગ લીલો રાખેલો. જીભનાં મસલ્સ સૌથી મજબૂત હોય છે. ચોખ્ખુ મધ કદી બગડતું નથી. છીંક કે ઉધરસ આવે ત્યારે નાક અને મોં સાથે બંધ ન રાખતા નહીં તો ડોળા બહાર આવી જશે. બે મોટા વૃક્ષ એક પરિવારના ચાર વ્યક્તિ માટે જરૂરી હોય એટલો ઑક્સિજન ઉત્પન્ન કરે છે. એક સામાન્ય ગોલ્ફના દડા પર લગભગ ત્રણસો છત્રીસ જેટલા ખાડા હોય છે. દુનિયાનો સૌપ્રથમ શબ્દકોષ અંગ્રેજી વિદ્વાન જોન ગોલેન્ડે લેટિન ભાષામાં બારસો પચીસ ની સાલમાં તૈયાર કર્યો હતો. દુનિયાભરની કોલસાની ખાણોમાંથી દર મિનિટે છસો ટન કોલસો કાઢવામાં આવે છે. ભારતમાં સાહસિક ધંધાદારીઓમાં દસ ટકા મહિલાઓ છે. સાધારણ રીતે સરેરાશ વ્યક્તિ દિવસમાં પંદર વખત હસે છે. લૉસ ઍજલિસમાં માણસોની વસ્તિ કરતાં મોટરોની વસ્તિ વધારે છે. ઈટાલીના લોકોની સૌથી મનગમતી વાનગી 'પાસ્તા' છે. પાસ્તાના વિવિધ પ્રકારોમાં સૌથી લોકપ્રિય સ્પગેટી છે. અમેરિકાના બજારમાં ચારસો પચાસ કરતા પણ વધુ વિવિધ પ્રકારના ઠંડા પીણા મળે છે. દુનિયામાં સૌથી ઊંચું વૃક્ષ કેલિફોર્નિયામાં આવેલું કોસ્ટ રેડ્વૂડ છે. તેની ઊંચાઈ ત્રણસો સાઠ ફૂટ છે. વિશ્વભરની વિશાળ વાયુસેનાઓમાં ભારતીય વાયુસેનાનું સ્થાન ચોથા નંબરે છે. કહેવાય છે કે શાહજહાએ કાળા આરસપહાણનો બીજો તાજ મહાલ રચવાનું નક્કી કર્યું હતું જે યમુનાને બીજે કિનારે હોત અને બંને ને જોડતો એક પુલ બનાવવાનો હતો. બ્લુ વ્હેલ એટલી મોટેથી સીટી વગાડે છે કે તેનો અવાજ એકસો અઠ્ઠયાસી ડેસી મીટર દૂર સુધી સંભળાય છે. લિયોનાર્ડો દ વિંશી વિષે કહેવાય છે કે તેઓ એક હાથે લખે છે અને